ધીરે ધીરે તેઓએ મને આવકાર્યું તેમના સમુદાયમાં. અને આ પ્રથમ વખત હતો કે મેં કેમેરાનો શસ્ત્ર તરીકે સભાનપણે ઉપયોગ કર્યો. એક દિવસ, પુરુષો આયોજન કરી રહ્યા હતા એક મજૂર કામદાર કેન્દ્ર બનાવવાનું. ટોમ્સ નામનો એક યુવાન મારી પાસે આવ્યો અને મને પૂછ્યું, "શું હું પાછળ રહું અને તેની તસ્વીર લઉં?" તેથી હું સંમત થયો. જેવો તે ખાલી ગંદકીના ભાગની વચ્ચે ગયો, હળવો ઉનાળુ વરસાદ પડવા માંડ્યો. મારા આશ્ચર્યની સાથે તેમણે શરૂઆત કરી તેના કપડાં ઉતારવાની. મને બરાબર ખબર નહોતી કે શું કરવું. તેણે આકાશ તરફ ઇશારો કરીને કહ્યું, "આપણી પાસે આપણું શરીર છે." તે ગર્વ અનુભવી રહ્યો હતો અસ્પષ્ટ અને નિર્બળ, બધું એક સાથે. અને આ મારા પાછલા ટ્વેન્ટી વર્ષનાં મનપસંદ તસ્વીરોમાંની એક છે. ત્યારથી તેની વાત મારી સાથે અટકી ગઈ છે. હું તે જ સમયે લૂપે ગુઝમનને મળ્યો જ્યારે તે ડે મજૂર એજન્સીઓ સામે લડવાનું આયોજન કરી રહી હતી જે તેનું અને તેના સહકાર્યકરોનું શોષણ કરતા હતા. તેણીએ નાના પાયે વિરોધ પ્રદર્શિત કર્યા, સિટી-ઇન્સ અને ઘણું બધું. તેણીએ તેની સક્રિયતા માટે ઉંચી કિંમત ચૂકવી કારણ કે રોન જેવી દૈનિક મજૂર એજન્સીઓ તેણીનો અસ્વિકાર કર્યો અને કામ આપવાની ના પાડી. તેથી ટકી રહેવા માટે તેણી એલોટ્સ અથવા શેરી પર પલંગ પર મકાઈ વેચવાનું શરૂ કર્યું શેરી વિક્રેતા તરીકે. અને આજે તમે હજી પણ તેને શોધી શકો છો મકાઈના તમામ પ્રકાર અને વિવિધ કેન્ડી અને સામગ્રીને વેચતા. લૂપે મને અંદર લાવ્યો તેના પરિવારની આંતરિક દુનિયામાં અને મને બતાવ્યું સ્થળાંતરની સાચી અસર. તેણીએ તેના વિસ્તૃત પરિવારમાં દરેક સાથે મારી ઓળખાણ કરાવી, ગબી, જુઆન, કોંચી, ચાવા, દરેક. તેની બહેન રેમેડિઓઝ।એ એંસેલ્મો સાથે લગ્ન કર્યા હતા જેની નવ ભાઇ બહેનોમાંથી આઠ મેક્સિકોથી શિકાગો સ્થળાંતર કર્યું હતું નેવુંના દાયકામાં. તેના પરિવારના ઘણા લોકોએ તેમની દુનિયા મારા માટે ખોલી અને તેમની વાર્તાઓ રજૂ કરી. પરિવારો હૃદય અને જીવનભાર છે સ્થળાંતર માર્ગના. જ્યારે આ પરિવારો સ્થળાંતર કરે છે, તેઓ સમાજોમાં ફેરફાર અને પરિવર્તન લાવે છે. તેમાં ઘનિષ્ઠપણે પ્રવેશ મેળવવો દુર્લભ છે. ઘનિષ્ઠ અને દૈનિક જીવન એવા લોકોના કે જે જરૂરીયાતથી બહારના લોકો માટે બંધ છે. તે સમયે, લુપેનો પરિવાર વાડાની પાછળના ભાગમાં ઇન્સ્યુલર વિશ્વમાં રહેતો હતો, શિકાગોના એક સજ્જડ પડોશી, જે હન્ડ્રેડ થી વધુ વર્ષોથી પ્રવેશના દ્વાર હતા તાજેતરના દેશાંતરવાસી માટે. પ્રથમ, મારા કુટુંબની જેમ, યુરોપથી, અને વધુ તાજેતરમાં, લેટિન અમેરિકાથી. તેમનું વિશ્વ મોટા ભાગે દૃશ્યથી છુપાયેલું હતું. અને તેઓ મોટા કહે છે, "પડોશી બહાર સફેદ વિશ્વ ગ્રિંગોલેન્ડિયા."